એક ભારતશ્રેષ્ઠ ભારત અભિયાન હેઠળ જમ્મુ અને કાશ્મીરના પચાસ યુવાનો તમિલનાડુની પંદર દિવસની મુલાકાતે જશે તેઓ તમીલનાડુની મુલાકાત દરમ્યાન ઉદ્યોગો વિજ્ઞાન અને ટેકનોલોજીની સંસ્થાઓ તથા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેશે ત્યારબાદ તમીલનાડુના પચાસ યુવાનો જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે જશે તમીળનાડુના મુખ્યમંત્રી ઈ તેમણે કહ્યું કે સરકારની કામગીરી ટેકનોલોજી સરળતાથી ઉપલબ્ધ કરાવવાની છે હોલીવુડ અભિનેતા મુહમ્મદ અલી ફિલ્મમાં ડોક્ટર કલામની ભુમિકા ભજવશે ગઇકાલે રમાયેલી ફાઇનલમાં બાંગ્લાદેશે ચાર વખત સ્પર્ધા જીતનાર ભારતને ત્રણ વિકેટ પરાજ્ય આપ્યો છે તેમણે એમ પણ કહ્યું કે વિવિધતામાં એકતા એ ભારતની ઓળખ છે તેમણે કહ્યું કે આ વિસ્તારને સંરક્ષિત વિસ્તાર જાહેર કરવા બાબતે તેઓ કાનૂની ટીમ સાથે મસલતો કરશે એક ભારતશ્રેષ્ઠ ભારત અભિયાનનો મુખ્ય હેતુ બધા જ રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોને સાંકળી લઈને રાષ્ટ્રીય એકતાને મજબૂત બનાવવી તથા વિવિધ વિસ્તારોના નાગરિકો વચ્ચેના સંપર્કને પ્રોત્સાહન આપવાનો છે સમગ્ર દેશમાં અઢાર દિવસ માટેના એક ભારતશ્રેષ્ઠ ભારત અભિયાનનો આજથી આરંભ થશે સરકારે જણાવ્યુ છે કે સીંગાપુર થાઇલેન્ડ અને ચીનથી વિમાનમાર્ગે આવતા મુસાફરોની સ્ક્રીનીંગની કામગીરી વિમાનમથકે ચાલી રહી છે ચીનમાં કોરોના વાયરસના લીધે મૃત્યુ પામનારની સંખ્યા વધીને નવ સો બે થઇ ચીનની બહાર હોંગકોંગ અને ફિલીપાઇન્સમાં અગિયાર વ્યકિતના કોરોનાના લીધે મોત થયાના અહેવાલ છે નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યુ છે કે પ્રધાનમંત્રીના નવા ભારતની સંકલ્પના પરિપૂર્ણ કરવા સરકાર લાગતાવળગતાઓ સાથે ચર્ચા કરશે ઓગણિસ દક્ષિણ આફ્રિકામાં રમાયેલી ઓગણિસ વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓ માટેની શ્ન વિસ્વકપ ક્રિકેટ સ્પર્ધામાં બાંગલાદેશ ભારતને પરાજ્ય આપીને સ્પર્ધા જીતી લીધી છે આમ સમગ્ર ચીનમાં કોરોનાના કેસોની સંખ્યા ઓગણચાલીસ હજાર આઠ સો થઇ છે ભારતે કોરોના વાયરસનો સામનો કરવામાં મદદ કરવાની ચીનને ઓફર કરી છે નાણામંત્રી નિર્મણા સીતારામણે વર્ષમાં એક વખત ના દરોનું તાર્કિકી કરણ કરવાની પધ્ધતી અપનાવવાની તરફેણ કરી છે સુશ્રી સીતારામને કહ્યું કે ઉદ્યોગ સાહસિકો ડિજીટલ ક્ષેત્રે જેટલી પ્રગતિ કરસે તેટલા પ્રમાણમાં નવા ભારતની સંકલ્પના ઝડપથઈ ચરિતાર્થ થશે બાંગ્લાદેશની ટીમ સ્પર્ધામાં પ્રથમવાર ફાઇનલમાં પહોચી હતી શૂન્ય આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે પશ્ચિમ ઓડીશામાં પણ આટલું જ તાપમાન રહ્યું હતું અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે પેમા ખાંડુ ઓગણત્રીસ તારીખે શપથ લેશે આજે માળખાંકિય અને ધાતુઓના શેર તથા વિદેશી મૂડીરોકાણ અને વૈશ્વિક શેરબજારમાં સુધારાની અસર જોવા મળી હતી ન્યાયાધીશ ચંદ્રશેખરે રોબર્ટ વાડરા ઉપરાંત તેના મદદનીશ મનોજ અરોરાને પણ નોટીસ પાઠવી છે શૂન્ય તમામ વર્ગને સાથે લઈને ચાલવા માટે અનુરોધ કર્યો હતો વારાણસીમાં જાહેર અભિવાદન થયું ન્યાયાધીશો તલવંતસિંઘ રજનીશ ભટનાગર આશા મેનન અને બ્રિજેશ સેઠીને મુખ્યન્યાયાધીશ રાજેન્દ્ર મેનને શપથ લેવડાવ્યા હતા અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી તરીકે શ્રી પ્રેમાખાંડુ ઓગણત્રીસ મે ના રોજ શપથ લેશે વારાણસીની એક વિદ્યાર્થીની પર બળાત્કારનો તેની પર આરોપ છે મહારાષ્ટ્રના ગોંદિયામાં ત્રણ પોલીસ કર્મચારીઓની હત્યા કરનાર નકસલવાદી પોલીસની શરણે આવ્યો છે આ અંગે નેપાળ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે દેશ આજે પ્રથમ પ્રધાનમંત્રી પંડિત જવાહરલાલ નેહરુને તેમની પપમી પુણ્યતિથિએ શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે।